ખરેખર, તેના કરતા પણ વધારે. પણ તેઓ વધુ કરી શકે છે. આ પટલ રિવર્સ ઓસ્મોસિસના સિદ્ધાંત પર આધારિત છે. હવે ઓસ્મોસિસ એ એક કુદરતી પ્રક્રિયા છે જે આપણા શરીરમાં થાય છે. તમે જાણો છો, આપણાં કોષો કેવી રીતે કાર્ય કરે છે અને ઓસ્મોસિસ એ છે જ્યાં તમારી પાસે બે ખંડો છે, જે મીઠાની સાંદ્રતાના બે સ્તરોને અલગ કરે છે. એક મીઠાની ઓછી સાંદ્રતાવાળુ સ્તર અને એક એ મીઠાની ઉંચી સાંદ્રતાવાળુ સ્તર અને બે ખંડોને અલગ પાડનાર એ અર્ધવ્યાપી પટલ છે.અને કુદરતી ઓસ્મોસિસ પ્રક્રિયા હેઠળ, જે થાય છે એ પાણી કુદરતી રીતે તે પટલ તરફ વહન કરે છે .ઓછી મીઠાની સાંદ્રતાના ક્ષેત્રમાંથી ઉચ્ચ મીઠાની સાંદ્રતાના ક્ષેત્રમાં, જ્યાં સુધી સંતુલન મળે ત્યાં સુધી. હવે રિવર્સ ઓસ્મોસિસ, આ કુદરતી પ્રક્રિયાનું વિપરીત છે અને આ વિપરીત હાંસલ કરવા માટે, આપણે ઉચ્ચ સાંદ્વતાવાળી બાજુ દબાણ લાવીએ છીએ અને આમ કરવાથી, આપણે પાણીને વિરુદ્ધ દિશામાં લઈ જઈએ છીએ અને તેથી ઉચ્ચ સાંદ્રતાવાળી બાજુ વધુ ક્ષારીય અને વધુ જલદ બને છે, અને ઓછી સાંદ્રતાવાળી બાજુ શુદ્ધ પાણી બને છે. તેથી રિવર્સ ઓસ્મોસિસનો ઉપયોગ કરીને આપણે ઔદ્યોગિક વિસ્તારનું ગંદુ પાણી લઈને તેમાંથી પંચાણું ટકા પાણીને શુદ્ધ પાણીમાં ફેરવી શકીએ છીએ, જેથી માત્ર પાંચ ટકા જ સાંદ્રતાવાળુ ક્ષારીય મિશ્રણ રહે છે. હવે, આ પાંચ ટકા એકત્રિત ખારા મિશ્રણનો બગાડ ન થવો જોઈએ. તેથી વૈજ્ઞાનિકો પણ પટલ વિકસાવે છે, જેમાંથી અમુક ક્ષાર પસાર થઈ શકે છે બીજા નહીં. આ પટલનો ઉપયોગ કરીને, જેને સામાન્ય રીતે નેનોફિલ્ટરેશન મેમ્બ્રેન તરીકે ઓળખવામાં આવે છે, હવે આ પાંચ ટકા કેન્દ્રિત ખારું મિશ્રણ શુદ્ધ મીઠાના મિશ્રણમાં રૂપાંતરિત થઈ શકે છે. તેથી કુલ રિવર્સ ઓસ્મોસિસ અને નેનોફિલ્ટરેશન પટલનો ઉપયોગ કરીને, આપણે ઔદ્યોગિક ગંદા પાણીને પાણી અને મીઠાના સ્રોતમાં ફેરવી શકીએ છીએ અને આમ કરવાથી, નદી સંરક્ષણ પદ્ધતિના આ બે સ્તંભોને પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે, મેં આને ઘણા ઔદ્યોગિક જળ વપરાશકારો સામે રજૂ કર્યું છે અને સામાન્ય પ્રતિસાદ એ છે, "હા, પણ મારું મીઠું કોણ વાપરશે? " તેથી ત્રીજો સ્તંભ એ મહત્વપૂર્ણ છે, જે લોકો ખાણના મીઠાનો ઉપયોગ કરે છે તેમને આપણે રીસાઈકલ મીઠાનો ઉપયોગ કરતાં ગ્રાહકોમાં ફેરવવાની જરૂર છે. તો આ મીઠાના વપરાશકારો કોણ છે? સારું, યુનાઇટેડ સ્ટેટ્સમાં, મને ખબર પડી કે તેંતાળીસ ટકા જેટલું મીઠું, રસ્તા પરના બરફ હટાવવાના હેતુ માટે વપરાયું હતું. રાસાયણિક ઉદ્યોગ દ્વારા ઓગણચાળીસ ટકા જેટલા મીઠાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેથી આ બંને વિગતો પર નજર નાખીએ. આથી, હું ચોંકી ગઈ વર્ષની શિયાળાની